પેટ પરની ચરબી વધે છે ત્રીસ વર્ષની ઉંમર બાદ પુરૂષોની ફાંદમાં વૃદ્ધિ થવાનું શરૂ થઈ જાય છે. જેમ કે ઉંમર વધે છે તેમ જ શરીરમાં કેલરીની ખપત ઓછી થવા લાગે છે. જેથી તમારી ગતિવિધિઓ પર નજર રાખો અને તમારા ભોજન પર ખાસ ધ્યાન આપો. આ ઉંમરે પહોંચવાની સામાન્ય સમસ્યા આ ઉંમરે પહોંચ્યા બાદ મોટાભાગના પુરૂષોમાં તણાવની સમસ્યા બહુ જ વધી જાય છે. જેના કારણે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓની સાથે શરીરમાં કેટલાક પ્રકારના ફેરફાર પણ આવે છે. જો તમને સતત તણાવ રહેતો હોય તો તરત ડોક્ટરને બતાવવું અને તણાવને તમારી જાત જાત પર હાવી થવા દેવું નહીં. હૃદય સંબંધી સમસ્યાઓ ત્રીસ વર્ષની ઉંમર બાદ ધીરે-ધીરે હાર્ટની કાર્યક્ષમતા ઘટતી જાય છે અને બ્લડનું પંપિગ પણ ઓછું થઈ જાય છે. જેના કારણે ધમનીઓમાં કોલેસ્ટ્રોલ ભેગું થવા લાગે છે અને બ્લડપ્રેશર વધી જાય છે. જેથી તમારા હાર્ટનું ધ્યાન રાખો, દિલને હેલ્ધી રાખે. એવા ખોરાક ખાઓ અને હળવી કસરતો કરો. ત્રીસ વર્ષની ઉંમર બાદ પુરૂષોમાં ટી લેવલ એટલે કે ટેસ્ટોસ્ટેરોન ઓછું થવા લાગે છે. એક સંશોધનમાં આવું જાણવા મળ્યું છે. જો તમારી કામેચ્છા ઓછી થવા લાગે અને તણાવગ્રસ્ત રહેવા લાગો તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને ટી લેવલને વધારવું જોઈએ. પુરૂષો ત્રીસ વર્ષ વટાવે પછી તે લોકોમાં અંડકોષના કેન્સરનો ખતરો પણ વધી જાય છે. જેથી જો તમારા અંડકોષમાં દુખાવો રહેતો હોય તો તરત જ ડોક્ટરને બતાવવું જોઈએ. જેથી વહેલી તકે સારવાર થઈ જાય અને ઈલાજ સરળ થઈ શકે. વિનાશકારી તબાહી વચ્ચે, મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. તે જ સમયે, કાટમાળ નીચે હજુ પણ મોટી સંખ્યામાં લોકો ફસાયેલા છે. ભારત, ચીન અને અમેરિકા સહિત ઘણા દેશોએ તુર્કી અને સીરિયાને મદદ મોકલી છે. જેમાં બચાવ ટુકડીઓ તેમજ તબીબી વ્યવસ્થા અને રાહત સામગ્રીનો સમાવેશ થાય છે. તે જ સમયે, તુર્કી અને સીરિયામાં હજુ પણ ભૂકંપના આંચકા સતત અનુભવાઈ રહ્યા છે. આ એપિસોડમાં, યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર, તુર્કીના નૂરદાગી શહેરમાં ફરી એકવાર ચાર પોઈન્ટ ત્રણની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના કારણે થયેલી તબાહી બાદ હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા લોકો જીવિત હોવાની આશંકા છે. આ જોતા રાહત અને બચાવ કાર્ય ખૂબ જ સાવચેતીપૂર્વક ચાલી રહ્યું છે, જેઓ જીવિત છે તેઓ કાટમાળના ઢગલામાં પોતાના નજીકના અને પ્રિયજનોને શોધી રહ્યા છે.